મને લાગે છે કે તે કંઈક છે જે આપણે આપણા વિશે કદાચ શીખ્યા છીએ કે 'જ્યારે તમને જરૂર ન હોય ત્યારે પીવટ ન કરો', મેકડોનાલ્ડે રેડિયો સ્ટેશનને જણાવ્યું હતું કે એક વસ્તુ અમને લાગ્યું કે અમે તે રમતમાં ઉતાવળમાં આવી ગયા, અને વસ્તુઓ ખૂબ ઝડપથી થઈ. આગલી ટેસ્ટ મેચમાં, અમે ખાતરી કરી હતી કે અમે રમતમાં અમારો સમય કાઢી શકીએ છીએ અને જાડેજા અને અશ્વિન અમને ઉતાવળ કરવા સક્ષમ ન હતા તેની ખાતરી કરી હતી. ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ કોચ ડેનિયલ વેટ્ટોરીએ પોતાના વિચારો શેર કર્યા અને કહ્યું, સ્ટ્રેસ પોઈન્ટ વિકેટ ગુમાવવા આસપાસ છે. તે તે છે જ્યાં તે થોડું અસ્પષ્ટ થઈ શકે છે, અને તમને લાગે છે કે તે અન્ય અગિયાર લોકો સામે ફક્ત તમે જ છો. તેથી આ એક પાસું છે જે ઓસી બેટ્સમેનોએ તેમના અર્ધજાગ્રત મનમાં રાખવાની જરૂર છે. ત્રીજી પસંદગીના પેસરની પસંદગી જોશ હેઝલવૂડને અયોગ્ય માનવામાં આવતાં સ્ટાર્ક અને કમિન્સ માટે ત્રીજા સીમરની પસંદગી એ મુખ્ય પાસું હશે. બોલેન્ડ ફાઈનલ માટે પ્રારંભિક માં કાગળ પર સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે લાગે છે. થર્ટી ફોર વર્ષીય જેની પાસે સાત ટેસ્ટમાં ટ્વેન્ટી એઈટ વિકેટ છે, તેણે હજુ સુધી ઇંગ્લીશ કંડિશનમાં એક પણ ટેસ્ટ રમી નથી અને નાગપુરમાં ભારત સાથેની તેની માત્ર પાંચ દિવસીય અથડામણમાં તે વિકેટ વિના ગયો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના મતે, માઈકલ નેસરને બદલે હેઝલવૂડને સ્થાન આપવા માટે બોલેન્ડ આદર્શ ઝડપી બોલર હશે, જેને ટીમમાં અન્ય ફાસ્ટ બોલિંગ વિકલ્પ તરીકે સામેલ કરવામાં આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં બોલેન્ડના રેકોર્ડને ટાંકીને પોન્ટિંગે સમજાવ્યું હતું કે છેલ્લા ટ્વેલ્વ મહિનામાં જ્યારે બોલેન્ડ રમ્યો ત્યારે તેનો રેકોર્ડ એકદમ ઉત્કૃષ્ટ રહ્યો છે. તે ખરેખર, આ અંગ્રેજી પરિસ્થિતિઓમાં સંભવિતપણે ખીલશે. અમે જોયું છે કે તે ઓસ્ટ્રેલિયામાં શું કરી શક્યો છે જ્યારે ત્યાં વિકેટની બહાર અને બોલ સાથે થોડી મદદ મળી છે. તેથી મને લાગે છે કે તે નેસેરની આગળ મંજૂરી મેળવશે. ઉસ્માન ખ્વાજા, ડેવિડ વોર્નર, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ. આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે. આંદોલનથી પાછળ હટવાના સમાચાર પર સાક્ષી મલિકે કહ્યું હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું, અમારી લડાઈ યથાવત્ છે આંદોલનથી પાછળ હટવાના સમાચાર પર સાક્ષી મલિકે કહ્યું હું રેલવેમાં મારી જવાબદારી નિભાવી રહી છું, અમારી લડાઈ યથાવત્ છે.